અને આ કટોકટીનુ માત્ર એક પાસું છે જે આપણે જોઈ રહ્યા છીએ. હું અહીં વિગતો મેળવવા જઇ રહી નથી પરંતુ હું તમને ઘણું કહી શકું છું. ઇતિહાસના સૌથી વિનાશક બળ આ ગ્રહ પર માનવતા પોતે છે. ઇતિહાસના મુદ્દામાં છીએ કે કોઈ વૈજ્ઞાનિક તમને ખાતરી આપી શકે નહીં કે તમે આ બચી શકશો. ઇતિહાસના મુદ્દામાં છીએ કે આ માનવતા એક વાતાવરણ બનાવે છે તે હવે માણસો માટે સલામત નથી. હા, હું ત્યાં હતી અને મને ખૂબ જબરજસ્ત લાગ્યું. પણ સારા સમાચાર હતા. આ બધા વિશે મે પ્રથમ જાણ્યું. વિશ્વભરના નેતાઓ પેરિસમાં સાથે આવ્યા ગ્લોબલ વોર્મિંગ બે ડિગ્રીથી નીચે મર્યાદિત કરવાના સામાન્ય લક્ષ્ય પર નિર્ણય લેવા. ચિત્રો વિશ્વભરમાં ગયા અને મને તે ઇતિહાસ કહેવામાં આવ્યો તે દિવસે બન્યો હતો. કંઈક તદ્દન આ વિશે કામ કરતી તેમ ન હતું. આ કરાર પર હસ્તાક્ષર થયા પછી વસ્તુઓ ખરેખર સારી થઈ ન હતી. ખરેખર, તે વધુ ખરાબ થયા. નિર્ણાયકો અને ઉદ્યોગો, નેતાઓ અને રાજકારણીઓ તેઓ હંમેશની જેમ ધંધા પર પાછા ગયા. આપણા જીવનનિર્વાહનું શોષણ જેમ કે ખરેખર કોઈ કાલ નથી. કોલસા પાવર પ્લાન્ટ બનાવવા ફરીથી અને ફરીથી તેમ છતાં આપણે જાણીએ છીએ કે આ બંધ કરવાની જરૂર છે પેરિસ કરાર અનુસાર. ત્યાં સમગ્ર વિશ્વની પવન અને સૌર ઊર્જા સ્થાપનાઓ છે. હકીકતમાં, આ સકારાત્મક ફેરફારો ખૂબ ધીમા છે. તેથી પેરિસ કરાર પર હસ્તાક્ષર થયા ત્યારે હવામાનના આલેખ ટોચ પર રહ્યા હતા દર વર્ષે રેકોર્ડ તોડવાના. પાંચ સૌથી ગરમ વર્ષ નોધાયાં હતા તે અગાઉના પાંચ વર્ષ હતા અને આજ કરતા કોઈપણ સમયે વૈશ્વિક ઉત્સર્જન વધારે થતું ન હતું. એક બાજુથી વિજ્ઞાન જોઈ અને સમજવા, બીજી બાજુ જવાબો અને ક્રિયાને જોવા નહીં. તે સમયે મારી પાસે પૂરતું હતું. હું જાતે યુએન હવામાનપરિષદમાં જવા માંગતી હતી. તે એ જ જગ્યા છે જે લોકોને સાથે લાવવા માટે બનાવવામાં આવી હતી આબોહવા સુધારવા માટે. આ ગયા વર્ષે હતું. હું આબોહવા સંમેલનમાં ગઈ હતી અને આ શોધવા માટે કે આ ખરેખર કેવું છે. આ સેના વિશે છે. રાજકીય વાસ્તવિકવાદીઓ માટે આ કોઈ આશ્ચર્યજનક ન હોઈ શકે પરંતુ મને સહન કરવું મુશ્કેલ લાગ્યું. આ અશ્મિભૂત બળતણ ઉદ્યોગો અને રાજકીય નેતાઓ વાસ્તવિક પરિવર્તન થતું અટકાવવા માટે થતું બધું કરી રહ્યા છે. તેઓ પર્યાપ્ત મહત્વાકાંક્ષી લક્ષ્યો નક્કી કરવા માટે આતુર નથી.